કોણે કાગળનું વિમાન બનાવ્યું નથી? કાગળની હોડી? કાગળની ક્રેન? ઓરિગામિ એ બહુમુખી છે ડિઝાઇનર્સ માટે પ્લેટફોર્મ. એક કાગળની શીટમાંથી તમે બહુવિધ આકારો બનાવી શકો છો અને જો તમને તે ગમતું નથી, તમે ફરી ઉઠાવો અને ફરીથી ફોલ્ડ કરો. કોઈપણ ફોર્મ બનાવી શકાય છે ફોલ્ડિંગ દ્વારા ટુ ડી સપાટીથી અને આ ગણિતરૂપે સિદ્ધ છે. અને કલ્પના કરો કે તમારી પાસે હોત એક બુદ્ધિશાળી ચાદર તે ઇચ્છે તે કોઈપણ સ્વરૂપમાં સ્વગડી શકે છે ગમે ત્યારે અને તે જ હું કામ કરી રહ્યો છું. હું આ રોબોટિક ઓરિગામિને કરું છું "રોબોગામી". ફ્લેટ-શેટેડ રોબોટમાંથી તે પિરામિડમાં ફેરવાય છે અને પાછા સપાટ ચાદરમાં અને સ્પેસ શટલમાં. તદ્દન સુંદર. દસ વર્ષ પછી મારા જૂથ સાથે નીન્જા ઓરિગામિ રોબોટિક સંશોધનકાર અત્યારે તેમાંના લગભગ ટ્વેન્ટી ટુ અમારી પાસે રોબોગેમિસની નવી પેઢી છે અને તેઓ થોડી વધુ અસરકારક છો અને તેઓ તેના કરતા વધુ કરે છે. ઉદાહરણ તરીકે, આ ખરેખર શોધખોળ કરે છે સ્વતંત્ર રીતે જુદા જુદા પ્રદેશો દ્વારા. તેથી જ્યારે તે સૂકી હોય છે અને સપાટ જમીન, તે ક્રોલ કરે છે. અને જો તે અચાનક રફ ભૂપ્રદેશને મળે છે, તે રોલિંગ શરૂ થાય છે. તે આ કરે છે તે જ રોબોટ છે પરંતુ તે કયા ભૂપ્રદેશને મળે છે તેના આધારે. તે એક અલગ ક્રમને સક્રિય કરે છે એક્ટ્યુએટર્સ કે જે બોર્ડ પર છે. અને એકવાર તે અવરોધને પહોંચી વળે છે, તે તેના પર કૂદકો લગાવશે. તે સંગ્રહિત કરીને આ કરે છે તેના દરેક પગમાં અને તેને મુક્ત અને ગોકળગાયની જેમ. અને તે જિમ્નેસ્ટિક્સ પણ કરે છે. હા! તેથી મેં હમણાં જ તમને બતાવ્યું એક રોબોગામી શું કરી શકે છે. કલ્પના કરો કે તેઓ જૂથ તરીકે શું કરી શકે છે. તેઓ સામનો કરવા દળોમાં જોડાઈ શકે છે વધુ જટિલ કાર્યો. દરેક મોડ્યુલ, ક્યાં સક્રિય અથવા નિષ્ક્રિય, અમે તેમને એસેમ્બલ કરી શકીએ છીએ વિવિધ આકારો બનાવવા માટે. એટલું જ નહીં, નિયંત્રિત કરીને ફોલ્ડિંગ સાંધા, અમે બનાવવા અને હુમલો કરવામાં સક્ષમ છીએ વિવિધ કાર્યો. ફોર્મ નવી કાર્ય જગ્યા બનાવી રહ્યું છે. અને આ સમયે સૌથી વધુ શું છે મહત્વપૂર્ણ? વિધાનસભા છે. તેમને સ્વાયત્તતાની જરૂર છે. એકબીજાને એક અલગ જગ્યામાં શોધો, જોડો અને અલગ કરો તેના આધારે પર્યાવરણ અને કાર્ય. અને આપણે આ હવે કરી શકીએ છીએ. તો પછી શું છે? અમારી કલ્પના. આ એક સિમ્યુલેશન છે તમે શું પ્રાપ્ત કરી શકો છો આ પ્રકારના મોડ્યુલ સાથે.